તમે સ્ટાફ ક્વાર્ટર, સ્ટોર જનરેટર, ટ્રાન્સફોર્મર, બોઈલર, મોટર અને ઓઈલ એન્જિન બનાવવા માટે પણ જગ્યાનો ઉપયોગ કરી શકો છો. વેલ્ડીંગ પૂર્વ દિશામાં કરવું જોઈએ દાદરની દિશા તમારા કાર્યક્ષેત્રમાં નકારાત્મકતા ટાળવા માટે, ખાતરી કરો કે તમારા દાદર દક્ષિણ-પશ્ચિમ દિશામાં બાંધવામાં આવ્યા છે. તમારેપણ સુનિશ્ચિત કરવું જોઈએ કે બિલ્ડિંગની દરેક સીડી નિયમિતપણે સાફ કરવામાં આવે છે. એટલા માટે છે કારણ કે અવ્યવસ્થિત અને ગંદકી ઔદ્યોગિક જગ્યામાં દુષ્ટ ઊર્જાને આકર્ષે છે, અને ભારે નુકસાન તરફ દોરી શકે છે. સ્વચ્છ દાદર સારા વાઇબ્સ લાવે છે ઔદ્યોગિક જગ્યામાં ભોંયરાઓ ઔદ્યોગિક જગ્યામાં ભોંયરું મકાનના ઉત્તરપૂર્વ, ઉત્તર અથવા પૂર્વ ખૂણામાં બનાવવું જોઈએ. જો તે ખોટી દિશામાં બાંધવામાં આવે છે, તો તે નકારાત્મકતા લાવી શકે છે. તદુપરાંત, સકારાત્મકતાનું વાતાવરણ બનાવવા માટે તે તેજસ્વી રીતે પ્રગટાવવું જોઈએ. ભોંયરામાં યોગ્ય લાઇટિંગ રાખો હીટ ઝોન અને ચીમની ઉદ્યોગનો હીટ ઝોન હંમેશા દક્ષિણપૂર્વ ખૂણામાં હોવો જોઈએ. તેથી, તમારે ખાતરી કરવી જોઈએ કે ચીમની, ભઠ્ઠી, બોઈલર, પકાવવાની નાની ભઠ્ઠી, બર્નર, જનરેટર અને ટ્રાન્સફોર્મર બિલ્ડિંગની દક્ષિણપૂર્વ દિશામાં મૂકવામાં આવે છે. ઉત્તર કે પશ્ચિમ દિશામાં હીટ ઝોનબનાવો ઔદ્યોગિક જગ્યામાં લેબર ક્વાર્ટર માટે વાસ્તુ મજૂરો ઉદ્યોગોનું જીવન બળ છે. ગમે તે પ્રકારનો ઉદ્યોગ હોય કે કારખાનું, તમે લોકો વિના, ઉદ્યોગોના આ કામદારો વિના કોઈ સ્થાન ચલાવી શકતા નથી. મોટાભાગે મોટી ઔદ્યોગિક જગ્યાઓ તેના કાર્યબળ માટે ખાસ ક્વાર્ટર્સ અથવા રહેવાની જગ્યાઓ ધરાવે છે અનેવસવાટ કરો છો જગ્યાની પ્લેસમેન્ટ વાસ્તુશાસ્ત્ર મુજબ થવી જોઈએ. ઔદ્યોગિક સેટઅપનો દક્ષિણ પૂર્વ ભાગ અથવા ઉત્તર પશ્ચિમ ભાગ મજૂર રહેવા માટેના આદર્શ સ્થાનો છે. રહેવા માટે ઉત્તર ચતુર્થાંશ અને દક્ષિણ પશ્ચિમ ભાગ ટાળવો જોઈએ. ઔદ્યોગિક જગ્યા માટે વાસ્તુ ટિપ્સનો સારાંશ જો ઔદ્યોગિક જગ્યા વાસ્તુશાસ્ત્ર મુજબ લેઆઉટમાં બાંધવામાં આવે તો તમારા વ્યવસાયમાં પુષ્કળ વૃદ્ધિ અને વિપુલતા જોવા મળી શકે છે. ઔદ્યોગિક જગ્યાઓ માટે સરળ વાસ્તુ ટીપ્સને અનુસરવાથી વ્યવસાયમાં બિનજરૂરી સમસ્યાઓ અને અડચણો દૂર થઈ શકે છે અને તમને મોટી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે. ઉપરોક્ત બ્લોગમાં, અમે તમારી સાથે ઔદ્યોગિક જગ્યાઓ માટે મહત્વપૂર્ણ વાસ્તુ ટીપ્સ શેર કરી છે. જો તમે વધુ ટિપ્સ વિશે જાણો છો જે અમે ચૂકી ગયા હોઈએ, તો અમને નીચેના ટિપ્પણીઓ વિભાગમાં જણાવવા માટે નિઃસંકોચ. કોમર્શિયલ જગ્યાઓ માટે વાસ્તુ વિશે વધુ ફેક્ટરી માટેની વાસ્તુ ટિપ્સ તમારે જાણવીજોઈએ રેસ્ટોરન્ટ માટેની ટોચની વાસ્તુ ટીપ્સ દુકાન માટે વાસ્તુ ટીપ્સ સમૃદ્ધિ આકર્ષવા માટેની ટીપ્સ શારાઓ અને છાત્રાલયો માટે મહત્વની વાસ્તુ ટીપ્સ ફેક્ટરી માટે વાસ્તુ ઉત્પાદન અને નફામાં વૃદ્ધિ માટેની ટીપ્સ વ્યાપારી જીમ માટે વાસ્તુશાસ્ત્ર માર્ગદર્શિકા નસીબ અને વ્યવસાયમાં સફળતા માટે સરલ ફેંગ શુઇ ટિપ્સ કોમર્શિયલ